અત્યાર સુધી માત્ર બે જ અધિકારીઓ એ ફિલ્ડ માર્શલનું પદ મેળવ્યું છે : ફિલ્ડ માર્શલ કે એમ કરીઅપ્પા પ્રથમ ભારતીય કમાન્ડર ઈન ચીફ અને ફિલ્ડ માર્શલ એસ એચ એફ જે માણેકશો , જે પાકિસ્તાન સાથેના ના યુદ્ધમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા. આ હવે ચાલુ રાખવામાં નથી આવ્યું. નોન કમિશન્ડ ઓફિસર્સ જે હવાલદારના પદ પર હોય તે સમ્માનીય જે. સી. ઓ પદ માટે યોગ્યપાત્ર છે. ખૂબ સારા જેસીઓના પદને આપવામાં આવેલા અને લેફટેનન્ટના ચૂકવવામાં આવેલ, ભૂમિકા જેસીઓ માટે પણ ચાલુ જ રહી છે. ભારતીય ભૂમિ સેનાનો હાલનો યુદ્ધ સિદ્ધાંત એ પ્રભાવશાળી રીતે ઉપયોગમાં આવતી કબજો કરતી સેના નિર્માણ અને લે કે પ્રહાર કરવાવાળી સેના નિર્માણ પર આધારિત છે. આક્રમણના સમયે, કબજો કરતી સેના નિર્માણ દુશ્મનને રોકી રાખે છે અને પ્રહાર કરવાવાળી સેના વળતો પ્રહાર દુશ્મન સેનાને બેઅસર કરવા માટે કરે છે. ભારતીય આક્રમણના કેસમાં, કબજો કરતી સેના દુશ્મન સેનાનું ધ્યાન બાંધી રાખે છે જ્યારે પ્રહાર કરતી સેના ભારતીય દ્વારા નક્કી કરાયેલા સ્થળ પર આક્રમણ કરે છે. ભારતીય ભૂમિ સેના પ્રહાર કરવાની ભૂમિકા નક્કી કરવા માટે ઘણા વિવિધ કોર્સ્પને અપર્ણ કરી શકે એટલી મોટી છે. હાલમાં, સેના ખાસ ક્ષમતા દળો વધારવા તરફ ધ્યાન આપી રહી છે. મોટાભાગના સેનાના ઉપકરણ આયાત કરવામાં આવે છે, પરંતુ જાતે સ્વદેશી ઉપકરણનું ઉત્પાદન કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તમામ ભારતીય લશ્કરી નાના શસ્ત્રોનું ઉત્પાદન ઓર્ડનન્સ ફેકટરી બોર્ડના વહીવટ હેઠળ કરવામાં આવે છે, અને સાથે મુખ્યત્વે અગ્નિશસ્ત્રો ઉત્પાદન માટેની સગવડો ઈચ્છાપુર, કોસીપોર , કાનપુર, જબલપુર અને તિરુચીરાપલ્લીમાં છે.